વ્યવસાયિક બાબતોમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય યોગ્ય નથી. પારિવારિક વાતાવરણ ખુશનુમા બની શકે છે. વર્તમાન વાતાવરણમાં તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. કુંભ રાશિફળ: ગણેશજી કહે છે કે પરિવારના સભ્યો સાથે બેસો અને વિચારોની આપ-લે કરો. ઘણી સમસ્યાઓ હલ થઈ શકે છે. તમારા કામ સિવાય અન્ય ક્ષેત્રોમાં પણ રસ રહેશે. નવી માહિતી મેળી શકે છે. થોડા ખર્ચાઓ અચાનક આવી શકે છે, જેને કાપવા મુશ્કેલ હશે. આ સમયે, કોઈપણ કામ કરતી વખતે શાંત રહો. તનાવ ન કરો. વેપારમાં આજે સ્થિતિ થોડી અનુકૂળ રહી શકે છે. પતિ-પત્ની વચ્ચે કોઈ પણ મુદ્દે વિવાદ થઈ શકે છે. મધ્યમ દિનચર્યા અને આહાર તમને સ્વસ્થ રાખી શકે છે. લાંબા સમય પછી કોઈ પ્રિય મિત્ર સાથે વાત કરવાથી ખુશી મળી શકે છે. કોઈ ખાસ મુદ્દા પર પણ ચર્ચા થશે. યુવાનો પોતાના લક્ષ્યને લઈને થોડા ચિંતિત રહેશે. કોઈ દુઃખદ ઘટનાને કારણે તમે ભાવનાત્મક રીતે નબળાઈ અનુભવશો. કોઈપણ પ્રકારના વિવાદ અને વાદ-વિવાદથી દૂર રહો. ઓફિસ કે બિઝનેસમાં સહયોગીઓ સાથે સંબંધોમાં ખટાશ ન આવવા દો. પારિવારિક વાતાવરણ આનંદથી જળવાઈ રહેશે. કેટલાક સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં સુધારો થઈ શકે છે. ગૂગલે એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી યુઝર્સને આપી મોટા જોખમની ચેતવણી, તેનાથી બચવાના ઉપાયો પણ જાણો: બજારમાં હાલ ઘણા સસ્તા એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી વેચાઇ રહ્યા સે. ત્યારે ગૂગલે એન્ડ્રોઇડ ટીવી ઓએસ અંગે યુઝર્સને ચેતવણી આપી છે. બજારમાં હાલ ઓછી કિંમતના ઘણા સસ્તા સ્માર્ટ ટીવી વેચાઇ રહ્યા છે જે એન્ડ્રોઇડની સાથે આવે છે. હાલ મોટાભાગના ઘરોમાં એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી લાગી ગયા છે. સ્માર્ટ ટીવીની માટે ગૂગલ તરફથી ઓફર કરવામાં આવતી ગુગલ ટીવી સૌથી મોર્ડન અને બેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે. એન્ડ્રોઇડ ટીવીનો ટેલીવીઝન માર્કેટના એક મોટા હિસ્સા પર કબ કબજો છે અને તે ઘણી લોકપ્રિય પણ છે. જો કે એવું લાગે છે કે બજારમાં ઉપલબ્ધ તમામ ઉપકરણો ચકાસાયેલા વેરિફાઇડ અથવા સુરક્ષિત વર્ઝન પર ચાલતા નથી. આ જ કારણ છે કે ગૂગલે હવે તે બધા એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે જેઓ સસ્તા ટીવી બોક્સનો ઉપયોગ કરી રહ્યા છે. નોન – વેરિફાઇડ યુઝર્સને આપી ચેતવણી ગૂગલે એન્ડ્રોઇડ ટીવી યુઝર્સને એક મહત્વની સલાહ આપી છે.